દીપિકા પાદુકોણની 'કેસરી બિકીની'ને લઈને ઘણું રાજકારણ થયું હતું. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે. ફિલ્મ 'પઠાણ'માં થશે ફેરફાર? સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણ તાજેતરમાં એક્ઝામિનેશન કમિટી પાસે પ્રમાણપત્ર માટે ગઈ હતી. સીબીએફસીની માર્ગદર્શિકા અનુસાર ફિલ્મને નજીકથી જોવામાં આવી હતી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફારો ફિલ્મના ગીતો વિશે પણ છે. સમિતિએ પઠાણને તેની થિયેટર રિલીઝ પહેલાં સુધારેલી આવૃત્તિ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે. એજન્સી અનુસાર, સ્ત્રોત કહે છે કે "સેન્સર બોર્ડ હંમેશા સર્જનાત્મક અભિવ્યક્તિ અને લોકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખે છે. " અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. જ્યાં સુધી સૂચિત ફેરફારો ન થાય ત્યાં સુધી, હું જણાવવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે. "આપણે ધ્યાન આપવું પડશે કે તેને કોઈપણ કિસ્સા દ્વારા વ્યાખ્યાયિત ન કરવી જોઈએ. જે સત્ય અને વાસ્તવિકતા પરથી ધ્યાન હટાવે છે. મેં અગાઉ કહ્યું તેમ સર્જકો અને પ્રેક્ષકો વચ્ચે વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે. સર્જકોએ આ દિશામાં કામ કરવું જોઈએ. 'બેશરમ રંગ' એ રેકોર્ડ બનાવ્યો: હવે સેન્સર બોર્ડે પઠાણના મેકર્સને ફિલ્મમાં શું ફેરફાર કરવા કહ્યું છે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. દીપિકાની 'કેસર બિકીની'માં રંગ બદલાશે કે પછી સીન્સ એડિટ કરવામાં આવશે? સવાલ મોટો છે, કારણ કે કપડાને લઈને આટલી હંગામા પછી ફિલ્મમાં બદલાવના કિસ્સા અગાઉ ક્યારેય સામે આવ્યા નથી. દીપિકા અને શાહરૂખનું ગીત બેશરમ રંગ ભલે વિવાદોમાં આવ્યું હોય, પરંતુ આ ગીત ચાર્ટબસ્ટરમાં ટોચ પર રહ્યું.